ગોંડલમાં સૌ સલામત છે કે નહીં એ જાણ્યા પછી રાત્રે અગિયાર વાગ્યે તેઓ ભોજન લેતા હતા. એક વાર એક બ્રાહ્મણ વિધવાનો પુત્ર ખોવાઇ ગયો. વિધવાની આંખમાં આંસુ રોકાતા ન હતાં. ભગવતસિંહજીએ આદેશ કર્યો કે, ગમે તે ભોગે બાળકને શોધી લાવો. દોઢ દિવસે બાળક સહી સલામત મળ્યું ત્યાર પછી જ ભગવતસિંહજીએ ભોજન લીધું હતું. ભગવતસિંહજી પ્રજા અને પોતાના વચ્ચે ક્યારેય ભેદભાવ કરતા નહીં. એમના અનુશાસનમાં દરેક માટે સમાન કાયદા જ રહેતા. યુવાનો શિસ્ત શીખે તે એમની અગ્રીમતા રહેતી. એમના મહેલમાં એક બગીચો હતો. આ બગીચામાં નિયમ હતો કે, ભગવતસિંહજીના આદેશ વગર પાંદડું પણ તોડી ન શકાય. પણ એકવાર એમના દીકરા નટવરસિંહે માળી જોડે કેળાની લૂમ તોડવાની જીદ કરી. માળીએ બાપુનો નિયમ બતાવી ના પાડી તો નટવરસિંહે માળીને તમાચો ચોડી દીધો અને કેળાની લૂમ તોડાવી. સાંજે ભગવતસિંહજી બગીચામાં લટાર મારવા નીકળ્યા ત્યારે કેળાની લૂમ તૂટેલી જોઇ અને કારણ જાણ્યું. એટલું જ નહીં, પોતાના પુત્ર નટવરસિંહને કાયદો તોડવા બદલ સજા કરી. એમના પાટવી કુંવર ભોજરાજસિંહને દારૂની લત પડી તો એમને પણ રાજ્યની હદપાર કરી દીધા હતા. સૌને શિક્ષણ મળે તે માટે દરેક ગામમાં શાળાઓ ખોલાવી હતી. તે સમયમાં કન્યાશિક્ષણને મહત્વ નહોતું અપાતું ત્યારે એમણે કન્યાશાળા શરુ કરી દરેક કન્યાને શિક્ષણ મળે એની ખાસ વ્યવસ્થા કરી. કસ્તુરભાઈ લાલભાઇ કસ્તુરભાઈ એક ઉમદા વ્યક્તિ, સફળ ઉદ્યોગપતિ, ઉદાર દાતા, જૈન શ્રેષ્ઠી હતા. તેઓ ઇચ્છતા કે વધારે યુવાનો એમના આ સાહસમાં જોડાય અને એ માટે તેઓ યુવાનોને તમામ પ્રકારે મદદરુપ થતા. એક વખત તબીબી અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ એમની પાસે અભ્યાસ માટે મદદ માંગી. કસ્તુરભાઈએ એને સ્કોલરશીપ તો આપી સાથે સાથે વિચાર્યું કે અતુલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો અને એમના પરિવાર માટે તબીબી સારવારની જરુર પડશે માટે તબીબી વ્યવસ્થા પણ હોવી જોઈએ. એમણે એ યુવાનને કહ્યું કે અભ્યાસ પૂરો કરીને તેને અતુલ ઇન્ડસ્ટ્રીમાં તબીબ તરીકે નિમણુંક આપવામાં આવે છે! એક વખત એમના ધ્યાનમાં આવ્યું કે અતુલમાં જોડાયેલા એક નવપરિણીત યુવાનના ઘરમાં પૂરતી સગવડ નથી. એમણે તાત્કાલિક એના ઘરમાં પૂરતી સગવડ કરી આપી. એમના માટે કામ કરતા લોકોને કોઈ જ અગવડ ન પડે તેનો તેઓ ખ્યાલ રાખતા. ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધીનું બાળપણ જવાહરલાલ નહેરુના પુત્રી અને મોતીલાલ નહેરુના પૌત્રી હોવાથી ઇન્દિરા ગાંધીનો ઉછેર ભારતની સ્વતંત્રતા ચળવળના વાતાવરણમાં થયો હતો. એમને મહાત્મા ગાંધી અને અન્ય મહાનુભાવોના આશીર્વાદ મળ્યા હતા. આ સૌ મહાન નેતાઓ એમના ઘરે અવારનવાર આવતા.